એક દિવસ એ હોસ્પિટલ આવ્યો તથા પેટના કૃમિનો ઈલાજ કરવા માટે જણાવ્યું. ત્યારપછી એ વ્યક્તિએ જે કર્યુ એ જોઈને ડોક્ટર આશ્વર્યચકિત થઈ ગયાં. પોતાની સમસ્યા જણાવતી વખતે એ વ્યક્તિએ ડોકટરના હાથમાં એક પોલીથીનની બેગ આપી હતી. જેમાં એક ખાલી ટોયલેટ રોલ મુકવામાં આવ્યો હતો, જેની ઉપર કંઈક લપેટેલું હતું. જયારે ડોક્ટરે એને બહાર કાઢીને જોયું તો તે દંગ રહી ગયા. કારણ કે, એની ઉપર એક ઘણો મોટો ટેપવોર્મ કૃમિ લપેટેલો હતો. જે દર્દીના પેટમાંથી નીકળયો હતો. દર્દીએ જણાવતાં કહ્યું કે, એક દિવસ પેટમાં દુઃખાવો થવા પર જયારે તે ફ્રેશ થવા માટે ટોયલેટમાં ગયો, તો એને પોતાના પેટ માંથી કંઈક નીકળતું દેખાયું, જેને જોઈ પહેલા તો તે ખુબ ડરી ગયો પરંતુથોડી હિમ્મત રાખીને જયારે એણે ખેંચવાનું શરુ કર્યુ, તો એ વસ્તુ લાંબા સમય સુધી બહાર નીકળતી રહી. એ પરજીવી કૃમિ દર્દીના પેટમાં જ મોટા થતા રહે છે. એ દરમ્યાન જો એ કૃમિ મળદ્વાર સુધી પહોંચી જાય તો એના બહાર નીકળવાની શક્યતા વધી જાય છે. પેટમાંથી નીકળેલ એ વિચિત્ર કૃમિને એ વ્યક્તિ ટોયલેટ રોલમાં લપેટીને ડોક્ટરની પાસે લઈ આવ્યો હતો. એ મરી ગયેલ કૃમિને જોયા બાદ ડોક્ટરે જણાવતાં કહ્યું કે, એ એક ટેપવોર્મ હતો, જે મોટાભાગે માંસમાં મળી આવતો હોય છે. આ પરજીવી પ્રાણીઓ તથા માનવીના પાચનતંત્રને ખુબ નુકશાન પહોંચાડે છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.